વિષે બહુ ઓછા જાનીએ છીએ, અને તેને નિયંત્રિત કરવા માટે કોઈ નિયમો નથી. કોમ્પ્યુટર સિસ્ટમને શક્તિ આપતા પહેલાં, ખાતરી કરો કે પાવર કોર્ડ સીપીયુની પાછળની પેનલ સાથે નિશ્ચિતપણે જોડાયેલ છે અને દિવાલ સોકેટમાં પ્લગ થયેલ છે. તપાસો કે મોનિટરની પાછળની પેનલ સાથે જોડાયેલ બીજા છેડેથી વિડિઓ કેબલની વિડિઓ કોર્ડના બંદર પર નિશ્ચિતપણે સ્ક્રૂ કરવામાં આવી છે કે કેમ. ખાતરી કરો કે કીબોર્ડ અને માઉસ પોઇંટિંગ ડિવાઇસ બંને પાછળની પેનલ પર સુરક્ષિત રીતે પ્લગ થયેલ છે. ઉપરાંત, તે નિશાનો પર ચકાસીને તપાસો કે શું તે સાચા બંદર સાથે જોડાયેલા છે. જ્યારે બધા કનેક્શન્સ સુરક્ષિત હોય, ત્યારે સીપીયુની ફ્રન્ટ પેનલમાં સામાન્ય રીતે સ્થિત પાવર બટનને દબાવીને મશીન શરૂ કરો મશીનના રૂપરેખાંકનના આધારે, વર્સપ્રાશકર્તાનામ અને પાસવર્ડની વિનંતી કરો શકાય છે; નહિંતર, સિસ્ટમ વપરાશકર્તાને ડેસ્ક્ડ પ પ્રદર્શિત કરવા માટે સીધી લોડ થઈ શકે છે. કોમ્પ્યુટર સિસ્ટમને બંધ કરવાની યોગ્ય રીત 'પ્રારંભ' બટન પર ક્લિક કરીને અને '' કોમ્પ્યુટર બંધ કરો 'વિકલ્પ પસંદ કરીને છે. મોનિટર સેટિંગ્સને સમયાંયોજિત કરવા માટે, ડેસ્ક્ડ પના કોઈપણ ખાલી ભાગનું પર જમણું ક્લિક કરો અને સંદર્ભ મેનૂમાંથી 'ગુણધર્મો' વિકલ્પ પસંદ કરો. ટૂરિઝમ પ્લાનિંગનું સ્વરૂપ અને અવકાશ વિવાદાસ્બસ્દ અને કંઈક અંશે નબળું રહેવાનું ચાલુ રાખે છે, કારણ કે મોટાભાગના સરકારી અધિકારીઓ અને પ્રયટન ઉદ્યોગના વ્યવસાયિકો તેમની પોતાની વ્યાખ્યાઓ અને કાર્યના પરિણામોનો ઉપયોગ કરે છે. તેના સ્વભાવથી બહુપરીમાણીય અને હેતુપૂર્વક સંકલિત છે. આ હોવાને કારણે, વિશેષ હિતે જૂથો, વિશિષ્ટ શાખાઓ અને વ્યવસાયોની સંકુચિત વ્યાખ્યાઓ અને દ્રષ્ટિકોણ, અને વિવિધ ફાળો આપતા ઉદ્યોગો અને પ્રવૃત્તિઓમાંથી દરેક યોજનામાં જન્મજાત તકો ગુમાવવાની સંભાવના છે. સામાન્ય સર્વસંમતિઓ છે કે તેના સૌથી પ્રખર હિમાયતીઓ ઇચ્છે છે તેટલું જ આયોજન કરવાની પ્રાપ્તિ ભાગ્યે જ સફળ થાય છે. વ્યક્તિઓ, નિગમો, વ્યવસાયો અને સરકારોના ઘણા નિર્ણયોની જટિલતાને જોતા આ આશ્ચર્યજનક નથી. જેમ જેમ આયોજનમાં કુશળતા વધી છે, તે સામાન્ય વાત બની ગઈ છે કે આયોજન સતત, લવચીક, સામાજિક-સાંસ્કૃતિક આકાંક્ષાઓને બદલતા પ્રતિબિંબિત થવું જોઈએ અને નવી તકો માટે જવાબદાર હોવું જોઈએ. શ્રીનિવાસ રામાનુજન વિશ્વના મહાન ગણિત પ્રતિભાશાળીમાંના એક હતા. એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા, તેમણે પોતાની છુપાયેલી પ્રતિભા વિશે કોઈ સંકેત આપ્યો ન હતો. તેમનો જન્મ માં કોઈમમતુર ઇરોડ ખાતે થયો હતો. તેમના પિતા કાપડના વેપારીના એકાઉન્ટન્ટ હતા જેમણે નાની આવક પર મોટો પરિવાર જાળવ્યો હતો. શ્રી તન્જોર જીલ્લામાં પ્રાથમિક શાળાની પરીક્ષામાં પ્રથમ ક્રમે આવ્યા ત્યારે શ્રીનિવાસને ફીની અડધી મુક્તિ આપવામાં આવી હતી. નાનપણથી જ રામાનુજન શાંત અને સ્વપ્નનશીલ સ્વભાવના હતા. તેની પાસે એવી બધી રકમનો જવાબ હતો જેણે તેના ક્લાસના મિત્રો અને સિનિયરોને આશ્ચર્યમાં મુક્યા હતા. આંકડાઓએ તેને ચિંતા નહોતી કરી, કોઈ ગણતરી પણ તેના માટે ખૂબ મુશ્કેલ નહોતી. જે બાબતો તેના વર્ગના સાથીઓને અંધાકાવાળી અને ગુંચવાતી હતી તે તેના માટે અજવાળ જેવી સ્પષ્ટ હતી. તેમણે હંમેશાં તેમને ઉદારતામાં મદદ કરી જે તેની કારકીર્દિમાં તેના પાત્રની સૌથી પ્રિય સુવિધા છે.